શિક્ષણ મેળવવાની તક મળી શકે અને પોતાના પરિવારને આર્થિક મદદ કરવા માટે દર અઠવાડિયે મળતો પગાર ઘરે મોકલી શકે. તેમણે નક્કી કર્યું કે આ એક સારી તક છે અને તેણે આ તક સ્વીકારવાનું નક્કી કર્યું. લિલીએ અંતે નિર્ણય લીધો અને ત્રણ બાળકોને ઉછેરવામાં મદદ કરી. એક દિવસ, તેણે અખબારમાં બીજા એક ઘરેલું કામદાર વિશેનો લેખ વાંચ્યો, જેની વાર્તા તેની પોતાની વાર્તા જેવી જ હતી. તે સમયે હું પણ આ ક્ષેત્રમાં કામ કરતી હતી. લિલીએ કોઈ રીતે મારો સંપર્ક શોધી કાઢ્યો અને તેના ભાઈનો પણ સંપર્ક કર્યો, જે તે સમયે અમેરિકામાં રહેતા હતા. અમે બંનેએ મળીને તેને બચાવવામાં મદદ કરી. તેને બાળકોમાંથી એક તરફથી પણ મદદ મળી. તે બાળક એટલું મોટું થઈ ગયું હતું કે તેને સમજાયું કે તેની આયા સાથે જે વર્તન કરવામાં આવ્યું હતું તે ખોટું હતું. તેણે બાળપણમાં બચાવેલા પોતાના પૈસામાંથી થોડા પૈસા લિલીને મદદરૂપ થવા માટે આપ્યા. પરંતુ આ વાર્તા વિશેની સૌથી મહત્વની વાત એ છે કે લિલીએ લગભગ પંદર વર્ષ ગુલામી જેવી પરિસ્થિતિમાં વિતાવ્યાં હતાં. માનવ તસ્કરી અને ગુલામી ગુનો છે. તેથી તેના વકીલો અને મેં લિલીને પૂછ્યું કે શું તે પોતાની સાથે થયેલા અન્યાય માટે ફોજદારી કાર્યવાહી કરવા માંગે છે. તેનો અર્થ શું થશે તે વિશે વિચાર્યા પછી તેણે ના પાડી, કારણ કે તે ઇચ્છતી નહોતી કે બાળકો તેમના માતા-પિતાથી અલગ થઈ જાય. તેના બદલે, અમે નાગરિક દાવો દાખલ કર્યો. અંતે અમે કેસ જીતી ગયા અને લિલીનો કેસ ઘરેલું કામદારોના અધિકારો માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની ગયો. તે પોતાના પરિવાર સાથે ફરી મળી અને આજે તેનો પોતાનો પરિવાર છે. પરંતુ આ વાર્તાની સૌથી ઊંડી વાત મારા માટે એ છે કે તેના જીવનના પંદર વર્ષ છીનવાઈ ગયા હોવા છતાં, બાળકો પ્રત્યેની તેની કાળજી અને કરુણા ક્યારેય ઓછી થઈ નહોતી, અને હું ઘરેલું કામદારો પાસેથી આ જ વારંવાર જોઉં છું. આ કામને યોગ્ય માન્યતા અને સન્માન ન મળવા છતાં, તેઓ હજુ પણ કાળજી રાખે છે. તેઓ આપણી સહિયારી માનવતાની ખૂબ નજીક છે. તેઓ જાણે છે કે તમારું નાનું બાળક કેવી રીતે રાખવું ગમે છે, તે સૂતા પહેલાં તેની બોટલ કેવી રીતે લે છે. તેઓ જાણે છે કે તમારી માતાને ચા કેવી રીતે ગમે છે, તેને કેવી રીતે સ્મિત કરાવવું અને તેના મુશ્કેલ દિવસોમાં પણ તેની સાથે કેવી રીતે વાત કરવી. તેઓ આપણી માનવતાની ખૂબ નજીક છે. કારણ કે દિવસના અંતે, આ એવા લોકો છે જે આપણા પરિવારોનો ભાગ બની જાય છે, કોઈની સંભાળ રાખનાર, કોઈની માતા જેવી વ્યક્તિ, કોઈની સાથી અને કોઈના પરિવારનો વિશ્વાસુ હિસ્સો